ધારે તો ઘણું કહી શકે તેમ હતા પણ તેઓ ચૂપ રહ્યાં. પરિસ્થિતિનો તેમણે સ્વીકાર કર્યો. પરાણે સાથે રહેવામાંય મજા નહીં. આ ઘર હવે છોડવું જ રહ્યું. તેમણે પોતાનું પેકીંગ ચાલું કરી દીધું. આમ તો અપેક્ષાએ થોડું પેકિંગ તો તેમની ગેરહાજરીમાં કરી જ આપ્યું હતું. ગણી-ગણીને એકેએક વસ્તુ લેવાઈ ગઈ હતી. સ્વેટર, શાલ, ટુવાલ, નેપકીન, ચશ્મા, રુમાલ, બ્રીજેશભાઇનો ફોટો, અને કપડાં. જાનકીબેન કપડાં તો પહેલેથી જ જરુર પૂરતા જ રાખતા, બાકીના વૃધ્ધાશ્રમમાં આપી દેતા. માંડ એક સુટ્કેશ માંડ ભરાણી. હવે બસ પુસ્તક પેક કરવાના બાકી હતા. આમ તો ત્રણ કબાટ ભરીને પુસ્તકો હતા, પણ તેમાંથી તેમને ગમે તેવા પુસ્તકો એક ખોખામાં અલગ પેક કર્યાં. અંતે તે દિવસ આવી ગયો. અપેક્ષાએ કહ્યું, "આપણે આનંદવન જવાનું છે." નાનકડા અંશેય સાથે આવવા જીદ પકડી, પણ અખિલ અને અપેક્ષાએ સાથે લઈ જવાની ના પાડી. તેને સ્કૂલમાં રજા પડે તેથી બાજુની સોસાયટીમાં રહેતા તેના માસીને ત્યાં મૂકતા જવાનું નક્કી થયું. બીજો કોઇ સમય હોત તો જાનકીબેન તરત કહેત ભલેને આવતો. પણ હવે જ્યારે મોહ માયા છોડવાના જ છે તો અંશનો મોહ શા માટે રાખવો? તેથી તેઓ ચૂપ રહ્યાં. અંશ રિસાઇ ગયો તેથી અવ આવજો પણ ન કહ્યું. એને શું ખબર કે હવે દાદીમા હંમેશા માટે આ ઘર છોડી રહ્યાં છે. જાનકીબેન ધીમેથી અંશને કહ્યું, "આવજે બેટા." આવજે કહેતા ધસી આવતા આંસુને તેમણે માંડ-માંડ રોક્યા. છેલ્લા વાર ઘરને મન ભરી ને જોઈ લીધું. ત્યાં તેમને પોતે પેક કરેલા પુસ્તકો યાદ અવ્યા. અખિલને કહ્યું, "અરે મારા પુસ્તકો તો રહી ગયા." અખિલે કહ્યું, "ત્યાં આખી લાયબ્રેરી છે. જીંદગી આખી વાંચો તોય ખૂટે એમ નથી. પુસ્તકો અહીંથી લઇ જવાની શી જરુર છે?" જાનકીબેન કશું ન બોલ્યા, ભારે હૈયે કારમાં બેઠા. અખિલ ઘરમાંથી એક મોટી સૂટકેશ લઇ આવ્યો. મનમાં વિચારી રહ્યાં, એક-એક વસ્તુ યાદ કરી-કરીને લીધા છે, તેથી શરીરને તો કદાચ કોઈ તક્ તકલીફ નહીં પડે, પણ મનને, આંસું છૂપાવવા જાનકીબેન બારી બહાર જોવા લાગ્યા. અપેક્ષા ખુશ હતી. તે અવનવી વાતો કરતી હતી.